તેઓ એક મકાનમાં સતર લોકો રહે છે. પણ તેમને દયા ન કરો. સૌથી અગત્યની બાબત એ છે કે તે બધા યોગ્ય શિક્ષણ મેળવે છે. આજના વિજેતાઓ ગઈકાલે હારનારાઓ છે, પરંતુ જેણે ક્યારેય હાર માની નથી. અને તે જ આપણે છે, મારી બહેનો અને હું. અને મને તેનો ગર્વ છે. જીવનમાં મારું સૌથી મોટું રોકાણ મારી બહેનોનું શિક્ષણ છે. શિક્ષણ સમાન અને ઉચિત તક બનાવે છે દરેકને તે બનાવવા માટે. હું વ્યક્તિગત રીતે શિક્ષણ માનું છું બધા અભ્યાસક્રમ વિશે નથી. તે મિત્રતા વિશે છે. તે અમારી પ્રતિભા શોધવા વિશે છે. તે આપણા ભાગ્યને શોધવા વિશે છે. હું, ઉદાહરણ તરીકે, ભૂલીશ નહીં મને જે આનંદ થયો જ્યારે મેં પ્રથમ પાઠ શાળામાં ગાયો હતો, જે હજી પણ મારો ઉત્કટ છે. પરંતુ હું તે મેળવી શકી ન હોત અન્યત્ર, બીજે ક્યાંક. એક શિક્ષક તરીકે, હું જોઉં છું પ્રયોગશાળા તરીકે મારો વર્ગખંડ કે જે માત્ર પેદા કરે છે કુશળતા અને જ્ઞાન પણ સમજ અને આશા. ચાલો એક વૃક્ષ લઈએ. એક ઝાડ તેની ડાળીઓ કાપી શકે છે, પરંતુ તેને પાણી આપો, અને તો નવી શાખાઓ થશે, યુદ્ધ બાળક માટે, એક શિક્ષણ તેમના નુકસાનના આંસુ ફેરવી શકે છે શાંતિ માટે ઉત્કટ માં. અને તે કારણોસર, હું હાર માનવાનો ઇનકાર કરું છું મારા વર્ગના એક જ વિદ્યાર્થી પર. શિક્ષણ મટાડવું. શાળા વાતાવરણ તમને આગળ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. ચાલો તેને આ રીતે લઈએ: જ્યારે તમે હલ કરવામાં વ્યસ્ત છો ગાણિતિક સમીકરણો, અને તમે કવિતાને યાદ કરી રહ્યા છો, તમે હિંસા ભૂલી જાઓ છો કે તમે ઘરે પાછી જોઈ. અને તે શિક્ષણની શક્તિ છે. તે શાંતિ માટે આ સ્થાન બનાવે છે. કાકુમા શીખનારાઓ સાથે જોડાઈ રહી છે. તેમાં બાળકોએ ઘરે પાછા યુદ્ધ કારણે શિક્ષણ ગુમાવેલા વર્ષોનો સમાવેશ થાય છે. અને હુંતમને એક પ્રશ્ન પૂછવા માંગું છું: જો શિક્ષણ વિશે છે આશાની પેઢી બનાવવી, કેમ ત્યાં એકસો વીસ વિદ્યાર્થીઓ છે મારા વર્ગમાં ભરેલા? તે માત્ર છ ટકા કેમ છે। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેને ઉચ્ચ શાળામાં બનાવી રહ્યા છે, ખાલી કારણ કે આપણી પાસે નથી તેમના માટે પૂરતા સ્થળો? અને તે માત્ર એક ટકા કેમ છે માધ્યમિક શાળા સ્નાતકો યુનિવર્સિટીમાં બનાવી રહ્યા છે? મેં એમ કહીને શરૂઆત કરી કે હું એક શિક્ષક છું. પણ ફરી એકવાર, હું વિદ્યાર્થી બની ગઈ છું. માર્ચમાં, હું રવાંડા ગઈ શિષ્યવૃત્તિ કાર્યક્રમ પર જેને "બ્રિજ ટુ રવાંડા" કહે છે. તે યુનિવર્સિટીઓ માટે વિદ્વાનો તૈયાર કરે છે. તેઓ સ્પર્ધા